પેટાચૂંટણીની જાહેરાત થતા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ સહિત ભાજપ તથા કોંગ્રેસના સ્ટાર પ્રચારકોને પોતાના પક્ષના ઉમેદવારો માટે સઘન પ્રચાર શરૂ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડીયા ખાતે સ્ટેગ્યુ ઓફ યુનિટી પરિસરમાં સત્તર પ્રોજેકટ નું લોકાર્પણ અને નવા ચાર પ્રોજેકટનો શિલાન્યાસ વિધિ કર્યો હતો શ્રી મોદી એ ત્યાર બાદ એકતા મોલ પણ ખુલ્લો મૂક્યો હતો વીસ ત્રણ આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ઉપસ્થિતોને રાષ્ટ્રીય એકતા માટે પ્રતિબદ્ધ થવાના શપથ લેવડાવ્યા હતા ગઈકાલે ગુજરાતમાં કેવડિયા ખાતે એકતા દિવસની ઉજવણીના મુખ્ય સમારોહમાં તેમણે કહ્યું કે નવ આતંકવાદના લીધે ઘણાં નિર્દોષોએ પ્રાણ ગુમાવ્યા છે પ્રધાનમંત્રી નરેન્મ મોદીએ સિવીલ સેવાના પ્રોબેશનરોને લોકો સાથે જોડાઇને લોકહિતમાં કામ કરવાનું આહવાન કર્યું છે છોટાઉદેપુરમાં ભાજપના કાર્યકરો અને રાજયસભાના સાંસદ નારણભાઇ રાઠવા અને નગરપાલિકાના પ્રમુખ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી એમ જણાવીને પ્રધાનમંત્રીએ કહ્યું કે સરહદી વિસ્તારોમાં સલામતીને ધ્યાનમાં લઈને માર્ગો પુલ તથા ટર્નલો બાંધવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે પ્રધાનમંત્રીએ દાવો કર્યો હતો કે કાશ્મીરમાં વિકાસ પથ પરના અવરોધો દૂર કરાયા બાદ તથા ઉત્તર પૂર્વમાં શાંતિ કરાર બાદ આ બંને વિસ્તારોમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે સમગ્ર પરિસરને રાત્રે પ્રકાશમય દેખાવ આપવા માટે એક અબજ જેટલી લાઈટ ત્યાં મૂકવામાં આવી છે જેનો પણ શ્રી મોદીએ પ્રારભ કરાવ્યો હતો રાજ્યમાં કોરોનાના દર્દીઓ સાજા થવાનો દર હવે નેવું જામનગરમાં રણજીતનગર પટેલ સમાજ ચોકમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમજ સીઆરપીએફની મહિલા પાંખે પ્રસ્તુત કરેલા રાયફલ ડ્રીલને પ્રધાનમંત્રીએ નિહાળ્યું હતું પ્રધાનમંત્રીએ કહ્યું કે અત્યારના સમયે અધિકારીઓ પ્રશાસનમાં મિનિયમ ગવનમેન્ટ એન્ડ મેક્સીમમ ગર્વનન્સ એટલે કે સરકારી હસ્તક્ષેપ ઓછો હોય અને વહિવટી કામકાજ વધુ હોય તે સુનિશ્ચિત કરે તેમણે સિવિલ સેવા અધિકારીઓને સામાન્ય લોકો વધુ સશક્ત બને તે માટે કાર્ય કરવા માટે અપીલ કરી શ્રી મોદીએ જંગલ સફારીનું ઉદ્ધાટન કર્યું હતું પાટણમાં ભાજપ કોંગ્રેસ સહિત વિવિધ સંસ્થાના સંગઠનો દ્વારા પુષ્પમાળા અર્પણ કરી લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનો ભાવાંજલિ અર્પણ કરી હતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસે અને મહર્ષિ વાલ્મિકી જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા સૈનિકોનો સન્માન સમારંભ યોજાયો હતો ગુજરાત પોલીસ કેન્દ્રિય સશસ્ત્ર દળ સરહદ સલામતી દળ કેન્દ્રિય ઔદ્યોગિક સલામતી દળ તથા રાષ્ટ્રીય સલામતી દળના જવાનોએ એકતા દિવસની પરેડમાં ભાગ લીધો હતો વીસ આઠ બગસરા સીએમ સભા બગસરામાં ચુંટણી સભાને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં અઠ્ઠાવીસ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરીયો ખેસ પહેર્યો છે ધારી બગસરા બેઠકની પેટા ચુંટણી ના પ્રચાર દરમ્યાન બગસરા ખાતે સભા સંબોધતા કોંગ્રેસ પર આક્ષેપ કરતાં શ્રી રૂપાણીએ કહ્યું હતુ કોંગ્રેસનું કહેવું છે કે ગુજરાતના તમામ ડેમ કોંગ્રેસે બનાવ્યા છે અમરેલી શહેરમાં આવેલ સરદાર પાર્કમાં સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો આજે ચૂંટણી પ્રચારના આખરી તબક્કામાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા ગઢડા વિધાનસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં આજે બપોરે ત્રણ વાગે રણીયાળા ગામે પાટીદાર સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠીઓ સાથેની બેઠકમાં હાજર રહેશે।